માટી વહી જતાં રસ્તો જોખમી બન્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને આનંદનગર-કનેલાવ રોડનો ઉપયોગ ન કરવા અને તેના બદલે તથા શામળાજી કોલેજવાળા વૈકલ્પિક રૂડ પરથી પસાર થવા કડક સૂચના અપાઈ છે.પાટણ અને મહીસાગર: પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પાટણમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાતા તીવ્ર પ્ર પવન સાથે ધૂળની ઢમરીઓ ઉઢી હતી, જેના કારણે રાહદારીઓ ફસાયા હતા. ત્યારબાદ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તીવ્ર પવનથી લાઈનોમાં ટેકનિકલ ખામીઓ સર્જાતા અનેક વિસ્તારોમાં લાંબો અંધારપટ છવાયો હતો. મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ છે કે દર મંગળવારે મેન્ટનસન્સના નામે કલાકો સુધી પાવર કાપ કરે છે, છતાં ચોમાસાના પ્રથમ સામાન્ય વાવાઝોડોમાં જ ફીકડકો કૂવા ખોરવાઈ જતાં પ્રી-મોન્સૂન બડી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. નવસારી, વલસાડ અને બોટાદ: મિની વાવાઝોડું નવસારીમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ગરમીથી રાહત મળી પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. વલસાડમાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ક્ષણભર માટે પાવર સપ્લાય બંધ થયા બાદ તુરંત પૂર્વવત કરાયો હતો. બોટાદમાં વહેલી સવારે પાળીયાદ રોડ, ટાવર રોડ, ગઢડા રોડ તેમજ ગ્રામ્ય પંથકના બરવાળા, સાળંગપુર, પાળીયાદ અને રાણપુર તાલુકાના નાગરે અને દિવળિયામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. તાપમાન અને આગામી પાંચ દિવસની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝિનીયનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આજથી બે દિવસ દિવસ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થરડસ્ટોર્મમાં એક્ટિવિટી દરમિયાન પવનની ઝડપ ચાલીસ થી પચાસ કિલો મીટર પ્રતિ કલાક આસપાસ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી ગરમીમાં રાહત મળશે. અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં થંડરસ્ટોર્મ સાથે હળવોથી મધ્યમ વરસાદી સ્પેલ જોવા મળી શકે છે. પવનની ગતિ અંગે ચેતવણી એક થી છ જૂન: અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, ભુજ અને દીવ સહિતના બાકીના તમામ જિલ્લાઓમાં ચાલીસ થી પચાસ કિલો મીટર ઝડપે પવન ફૂંકાશે. છ થી આઠ જૂન: સમગ્ર રાજ્યમાં પ્રી-મોન્સૂન સિસ્ટમ નબળી પડતાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. વરસાદની આગામી આગાહી એક થી ત્રણ જૂન: ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહેશે. ત્રણ ચાર જૂન: વરસાદનો વ્યાપ વધશે અને રાજ્યના તમામ